ભાજપ રાજ્યમાં પહેલીવાર સરકાર બનાવવા જઈ રહ્યું છે. ભાજપને બસો છ બેઠકો મળી છે, જ્યારે મમતાની પાર્ટી માત્ર એક્યાસી બેઠકો પર સમેટાઈ ગઈ છે. બે હાજર એકવીસની સદ્ વિધાનસભા ચૂંટણી સરખામણીએ એકસો ચોત્રીસ બેઠકોનું નુકસાન થયું છે. કોંગ્રેસના ખાતામાં બે બેઠકો આવી છે, જ્યારે બે બેઠકો હુમાયુ કબીરની પાલ્ટી 'આમ જનતા ઉત્રય યન પાલ્ટી'એ જીતી છે. અન્યના ફાળે બે બેઠકો ગઈ છે. સુવેન્દુ સામે આ તેમની સતત બીજી હાર છે. બે હાજર એકવીસ ની વિધાનસભા ચૂંટણીમાં સુવેન્દુ નંદીગ્રામથી મમતા સામે જીત્યા હતા. બંગાળમાં કુલ બસો ચોરાણું વિધાનસભા બેઠકો છે, જેમાંથી એક બેઠક ફાલતા પર એકવીસ મેના જ રોજ ફરીથી મતદાન થશે. એનું પરિણામ ચોવીસ મેના રોજ આવશે. બંગાળનો બદલાતો ચૂંટણી નકશો અગિયાર રાજ્યોમાં ભાજપ બહુમતીમાં, બાર રાજ્યોમાં સરકારમાં સમ્માયેલ બંગાળમાં ભાજપ જીત તરફ, ગુજરાતમાં જાલમુરીની પાર્ટી, પશ્ચિમમાં વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભારતીય જનતા પાર્ટી બહુમતી તરફ આગળ વધતા તેની અસર દક્ષિણ ગુજરાતના નવશારીમાં પણ જોવા મળી. નવસારીમાં વસતા બંગાળી સમાજના લોકો અને સ્થાનિક શ્રમિકોએ ભાજપના પ્રદર્શનને પરંપરાગત વાનગીઓ વહેંચીને વધાવી લીધું. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો.. અને મમતાજી સાથે સહમત છીએ. બંગાળમાં સો થી વધુ બેઠકો ચોરી કરવામાં આવી. અમે આ રીત પહેલા પણ જોઈ છે- મધ્ય પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને લોકસભા બે હાજર ચોવીસ માં પણ આવું જ થયું . ચૂંટણી ચોરી, સંસ્થા ચોરી હવે બીજા કોઈ ઉપાય શું છે? કૉપી લિંક કૉપી લીક મહેરામપુર બેઠક પરથી હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, જણાવ્યુ છે કે, હાલ બંગાળમાં ભગવો લહેર જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે, અમે કોંગ્રેસ પાર્ટી તરફથી પૂરી તાકાત સાથે ચૂંટણી લડ્યા હતા. અધીર રંજન ચૌધરીએ વધુમાં ઉમેર્યું હતું કે, તેમણે પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસને ફરીથી બેઠી કરવા અને તેને બચાવવા માટે તેઓ મુર્શિદાબાદ, માલદા, દિનાજપુર અને પુરુલિયા જેવા વિસ્તારોમાં પૂરતા પ્રયત્નો કરશે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય બંગાળના આ વિસ્તારોમાં પાલ્ટીના અસ્તિત્વને ટકાવી રાખવાનો છે. કૉપી લિંક મમતા બેનર્જી ભવાનીપુરના કાઉન્ટિંગ સેન્ટરમાંથી બહાર નીકળી ગયા. તેમણે કહ્યું કે, સો થી વધુ બેઠકો લૂંટી લીધી છે. ચૂંટણી પંચ, પંચ બની ગયું છે. બે બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ અગ્રવાલને પણ ફરિયાદ કરી. પરંતુ તેઓ કંઈ કરી રહ્યા નથી. શું તમને લાગે છે કે આ જીત છે? આ એક અનૈતિક જીત છે. ચૂંટણી પંચે કેન્દ્રીય દળો, વડાપ્રધાન અંગે ગૃહમંત્રી સાથે મળીને જે કંઈ પણ કર્યું છે તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. આ લૂંટ છે, અમે પાછા આવીશું. કૉપી લિંક બહરામપુરથી કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી ચૂંટણી હારી ગયા.